આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે જેતપુર તા લુકાના વાળા ડુંગર ગામના ખોડિયાર માતાજીના રામનાથ મહાદેવના મંદિર ગોંડલી નદીના વિકાસ ત્રંબાનાશ્રી ત્રંબકેશ્વર મહાદેવના મંદિરમાટે અંદાજીત રૂ પરંતુ સરકારની મહિલા ઓ અને બાળકો માટેની યોજનાઓ દીકરીઓ જન્મ માટે જન જાગૃતિ ના કાર્યો તેમજ મહિલા ઓ માટે ની પોષણયુક આહાર અને આરોગ્ય લક્ષી સેવાઓ ના કારણે આ વર્ષે આદિવાસી બહુલ્ય ધરાવતાં છોટાઉદેપુર જિલ્લામાં દીકરીઓ નો જન્મદર વધ્યો છે આ કાર્યક્રમમાં પાંચસોથી વધારે મહિલાઓ જોડાઈ હતી જેમાં મહિલાઓને કાયદાકીય જાણકારી તેમજ વિકાસના કાર્યોમાં મહિલાઓને યોગ્ય માર્ગદર્શન સહિત વિવિધ ક્ષેત્રમાં રોજગારી કેવી રીતે મળી શકે તે વિશે જાણકારી આપવામાં આવી હતી રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા પ્રવાસ ન વિકાસ સોસાયટીની બેઠક યોજાઇ હતી જેમાં ત્રણ હજારથી વધુ યુવતીઓ સામેલ થઈ હતી મહિલા દિવસ સેમિનાર મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહિલા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાની ડિવાઈન વુમન્સ ચેરિટેબલ ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ઇન્ડિયન રેડ ક્રોસ તેમજ મોડાસા નગર પાલિકાના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં મુખ્ય પાંચ ઘટકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે આજે મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના ટવીટર એકાઉન્ટનું સંચાલન વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારી સાત મહિલાઓ દ્વારા થઇ રહ્યું છે એક ટવીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે સ્ત્રીશક્તિની ઉર્જા અને સિદ્ધિઓનો આપણે સૌ આદર કરીને ગૌરવ અનુભવીએ છીએ ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં એક હજાર છોકરાઓ સામે ફક્ત આઠસો એક્યાસી દીકરીઓ નો જન્મ થયો હતો જે ગત વર્ષ ની સરખામણી માં ખૂબ જ સારો છે યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકામાં પધારશે ત્યારે યાત્રીકોની ભીડને લઈ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ શહેરમાં જુદી જુદી જગ્યાએ બંદોબસ્ત ગોઠવામાં આવશે અને યાત્રિકોની સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ મહા દોડ સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી કેબલ બ્રિજ થઈ ફરી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઈ હતી રાજકોટ પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક રાજકોટ જિલ્લાના વિવિધ યાત્રાધામોના વિકાસ માટે અંદાજીત પંદર કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે પંદર કરોડ વગેરેની રકમની ફાળવણી રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે જે તમા મના કામો હાલ પ્રગતિ હેઠળ છે પોષણ પખવાડીયાની ઉજવણી બેઠક સમાજની પ્રત્યેક વ્યક્તિ શારિરીક માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત બને તે માટે આઠ માર્ચથી બાવીસ માર્ચ દરમિયાન રાષ્ટ્રીય પોષણ પખવાડીયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લામાં પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા આરોગ્યલક્ષી પ્રવૃતિઓ હાથ ધરાશે જ્યારે દિવ્યાંગો માટે કાર્યકર્તા અને પ્રેરણાદાય વકતા ડોકટર માલવિકા અય્યરે જણાવ્યું કે દિવ્યાંગતા સામેની લડતમાં કોઇ વ્યક્તિનું સકારાત્મક અભિગમ વિજય મેળવવામાં મદદરૂપ થાય છે દ્વારકાફુલડોલ ઉત્સવ ફુલડોલ ઉત્સવને લઈ દ્વારકા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં પોષણ રેલી એનિમિયા કેમ્પ ખેડૂત બે રાજ્યના એપિડેમિક કન્સલ્ટેડ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય મોડાસાની મુલાકાતે આવ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે હોસ્પિટલ સંચાલકો તેમજ ડોક્ટર્સની ટીમ સાથે ચર્ચા કરી હતી।